જ્યારે હાસ્યની વાત આવે છે, ત્યારે ગુજરાતીના લોકોને તેમની ઉદાહરણો અને પરંપરાગત જોક્સમાં દખલ છે. ગુજરાતી જોક્સ તેમની રંજકતા અને નિખાલસતાના કારણે જાણીતા છે. કોઈપણ પ્રસંગ કે આનંદનો ઊંચો મસ્ત મોજ આપતી હાસ્યની પળો અમે જીવનમાં યાદ રાખીએ છીએ. આવી પળો સંબંધોને મજબૂત બનાવે છે અને દરેકની માથામાં સ્મિત લાવે છે. છેવટે, હાસ્ય એ જ જિંદગીનો મસાલો છે, જે આપણા દિવસોને વધારે સારા બનાવે છે. એક ક્લાસ માં એક છોકરી ને બધા "ફય" "ફય" કહી ને ચીડવતા હતા. એક દિવસ એ છોકરીએ આ વાત માસ્તર સાહેબ ને કિધી. માસ્તર સાહેબ કહ્યું: જે છોકરાઓ આને,"ફય" "ફય" કહી ને ચીડવતા તે બધા ઊભા થઈ જાય. પણ આખા ક્લાસમાં એક ભૂરો બેઠો રયો. માસ્તર સહેબે પૂછ્યું: તું આને "ફય" "ફય" કહી ને ચીડવતો નથી? ભૂરો કયે: સાયબ હું તો "ફુવા" છું. શુભ દશેરા જલેબી સ્ત્રીલિંગ જ છે.. એના બે કારણો છે.. સૌ પ્રથમ તે મીઠી છે, બીજું, તે ક્યારેય સીધી રહી શકતી નથી.. અને ફાફડા પુરુષ જેવા? મેળ પડે કે ના પડે જલેબી જોડે ગોઠવાઈ જ જાય.. બીજું, તે ક્યારેય સીધી રહી શકતી નથી.. મેળ પડે કે ના પડે જલેબી જોડે ગોઠવાઈ જ જાય.. મોજીલો મુવી ડિરેકટર મુવી ડિરેકટર કહે: હવે તારે આ સીનમાં દસ માં માળેથી કૂદવાનું છે. નવો એકટર: સર, પણ મને કંઇ થઇ ગયું તો? ડિરેકટર: અરે ચિંતા ના કર, આ મુવીનો છેલ્લો જ સીન છે. મુવી ડિરેકટર કહે: હવે તારે આ સીનમાં દસ માં માળેથી કૂદવાનું છે. પણ મને કંઇ થઇ ગયું તો? ડિરેકટર: અરે ચિંતા ના કર, આ મુવીનો છેલ્લો જ સીન છે. આઈફોન સોળ કે ઇલેકટ્રીક સ્કૂટર ચકો: શું ભૂરા પછી "આઈફોન સોળ" લીધો કે નહિ? ભૂરો: ના, પછી માંડી વાળ્યું. એને બદલે નવું એક "ઇલેકટ્રીક સ્કૂટર" લીધું છે. જેની સાથે વાતચીત કરવાની હોય તેને ઘરે જઈ ને મળીને વાતચીત કરી આવું છું. સસ્તું પડે છે, વળી જેના ઘેર જઈએ ત્યાં ચા-પાણી-નાસ્તો પણ કરી આવું છું. હવે ચકો, ભૂરાના ભાઈબંધ અને બધા સગાઓ ભેગા મળીને